જો કે ભવ્યાએ તેનાથી વિપરિત વાત કરી છે. તેણે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. આજકાલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોને લઈને ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે દિશા વાકાણી ગળાના કેન્સર સામે ઝઝૂમી રહી છે. બાદમાં દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણીએ આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂક્યું અને કહ્યું કે આ બધા ખોટા છે, નકલી છે. દિશા વાકાણી બે બાળકોની માતા છે. ભવ્ય ગાંધી વિશે વાત કરીએ તો, તેણે થોડા વર્ષો પહેલા આ શોને અલવિદા કહ્યું હતું. તેણે ગુજરાતી સિનેમા અને થિયેટરમાં કામ કર્યા બાદ શો છોડી દીધો હતો. શોમાં ટપ્પુની ભૂમિકામાં ભવ્ય ગાંધીની જગ્યાએ રાજ અનડકટે લીધો હતો. રાજ પણ એક નિશ્ચિત સમયગાળા માટે શોનો ભાગ બન્યો હતો. રાજ હવે બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. આ માટે તે સખત મહેનત કરી રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર રાજના ઘણા રોમેન્ટિક વીડિયો પોસ્ટ કરતો જોવા મળે છે. આ પહેલા તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું હતું. મેકર્સ અને શૈલેષ લોઢા વચ્ચે ઘણી અણબનાવ પણ થઈ હતી. મામલો ઉગ્ર બન્યો હતો. શૈલેષ લોઢાએ પોતાના કો-સ્ટાર્સના ફોન લેવાનું પણ બંધ કરી દીધું હતું. આજકાલ શૈલેષ 'વાહ ભાઈ વાહ' શોમાં જોવા મળે છે. જ્યારથી દિશા વાકાણીએ આ શો છોડી દીધો છે, ત્યારથી દર્શકોને તેને જોવામાં કંઈ ખાસ મજા નથી આવી રહી. પ્રેક્ષકો કહે છે કે દયાબેન વિના શો અધૂરો લાગે છે. શોમાં રમૂજની પણ કમી છે. શોનો જે ચાર્મ હતો તે આજના સમયમાં જોવા મળતો નથી. દર્શકોને રીઝવવામાં મેકર્સ પાછળ રહી ગયા હોય તેવું લાગે છે. આ શો નાના શહેરોમાં વધુ જોવા મળે છે. સત્યતા જાણીને આંખો પહોળી થઇ જશે તારક મહેતામાં ફરી એકવાર સંભળાશે 'હે માં, માતાજી! ' – દયા ભાભીને લઈને અસીદ મોદીએ કહ્યું નટુકાકાના નિધન બાદ બાઘાએ આપ્યું ચોંકાવનારુ નિવેદન, જે જાણીને તમે પણ કહેશો કે આ શું કહી દીધું? તારક મહેતા શોમાં 'બાઘા'ને મળી નવી બાવરી, બબીતાજી કરતા પણ વધારે ખૂબસૂરત છે આ એક્ટ્રેસ "'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નો જુનો ટપ્પુ ફરીથી શોમાં જોવા મળશે?